રતને ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી જોસ્વરસિંહના હાથમાં મૂકી. "શું લખ્યું છે આમાં?" "ખીમજીબાપાએ અમને બેયને આઝમલગઢ બોલાવ્યા છે." રાજીવે જેવી વાત પૂરી કરી ત્યાં જોરવરસિંહ માથે વીજળી પડી હોય કે સામે સાપ ઊભો હોય એમ એકદમ ઊભા થઈ ગયા. "ચાલી શું રહ્યું છે આ બધું? ભૂલભુલામણીમાં ભટકી રહેલા આ બેઉ ભડવીર આમાંથી હેમખેમ બહાર નીકળી શકશે કે નહીં? " જોરવરસિંહના મનમાં શંકાના વાદળ ઘેરાવા લાગ્યા, "રતન કરતા વધુ ચિંતા મને રાજીવની થાય છે, ચાર દિવસ પછી એની સગાઈ થવા જઈ રહી છે. સમય થોડો છે ને." ઝટપટ મોજડી પહેરીને બહાર નીકળી ગયા એટલે સામેના ઘરની દીવાલ પાછળ સંતાયેલો ઓળો પણ દબાતા પગલે એમની પાછળ જઈ પોતાના કામે લાગી ગયો, અને રતન-રાજીવ આ વાતથી બેખબર ઘરમાં દાખલ થઈ ચૂક્યા હતા. જોરવરસિંહ સીધા જઈને જમણી બાજુએ વળતાં પહેલા કોઈની આહટનો અણસાર આવતા પાછળ વળીને જોયું પણ કોઈ દેખાયું નહિ એટલે મનનો ભ્રમ માની આગળ વધ્યા અને ચોકમાં પીપળાના ઝાડ નીચે બાંધેલા ઓટલે જઈને બેઠા. "જોરાવરબાપુ, તબિયત તો હારી સે ને?" કરસને બીડી આપતાં પૂછ્યું, "કાલ રાતે, રતુભા ને એમનો ભાઈબંધ ખેતરે હુવા ગયા'તા?" "કાલે હુંય તે ખેતરે જ હુવા ગયો'તો. રાતે તમારા ખેતરમાંથી અવાજ સાંભળીને રાનીને ઉછાળા કરતી જોઈને હુંય વંડી ખોલીને બહાર નીકળ્યો પણ કાંઈ ભાળ્યું નહિ એટલે પાછો જતો રીયો. કાંય થયું છે? " "ના-ના કરસન, રાતે કોઈ જનાવર આવી ગયું હશે એટલે રાનીએ ઉછળકૂદ કરી'તી. રતને આવીને મને સંઘીય વાત કરી." "બાપુ, હું રાતે બહાર નીકળ્યો ત્યારે મેં ઝાડીઓમાં સળવળાટ થતો જોયો એટલે હું જરીક આગળ ગયો, જોવા હારુ. મારા પગના તળિયે કાંઈક ખુચ્યું એટલે વાંકા વળીને મેં એ વસ્તુ લઈ લીધી અને પાછો ખેતરે વયો ગયો. આ જુઓ, મને થયું કદાચ તમારા કામની ચીજ નીકળે," કરસને પહેરણના ગજવામાં હાથ નાખ્યો ને એ ચીજ કાઢી જોરવરસિંહના હાથમાં થમાવી દીધી. જેને જોતાંવેંત એમની આંખોના ડોળા ફાટી ગયા અને જલ્દી-જલ્દી એમણે એ વસ્તુ પોતાના ઝભ્ભાના ગજવામાં મૂકી દીધી અને ઊભા થઈ ઘર તરફ વળ્યા એટલે એમનો પીછો કરતા ઓળાએ પણ ઝાડની પાછલી બાજુએના ઓટલેથી ઊભા થઈ જોરવરસિંહનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. "રતન, તું માયાને મળી લે ત્યાં સુધી હું પણ મમ્મી-પપ્પા સાથે વાત કરી લઉં, બે દિવસથી એમની સાથે વાત નથી થઈ, એટલે એ બંને નકામી મારી ચિંતા કરતા હશે, અને અનન્યા સાથે પણ વાત કરી લઉં." રાજીવે જીન્સના ફ્રન્ટ પોકેટમાંથી મોબાઈલ કાઢી હાથમાં લઈ નંબર